હવે એવું નથી કે આને ફરક પડવો જોઈએ, હું જાણતો હતો કે અન્નાનો દીકરો ખાસ જરૂરિયાતો હતી અને ફરી એકવાર આ સમાચાર મને અર્થમાં ભર્યા ગભરાટ અને કર્કશ, તે કમનસીબે બની ગયું છે., મારા રોજિંદા કામની એક નિશાની. મારી પાસે હસ્તાક્ષર કરાયેલ અધિકૃતતા હતી, અન્નાના એટર્ની તરીકે ,તેથી હું પ્રવેશ બંદર તરફ દોડી ગયો. મારા ગ્રાહક સાથે વાત કરી શકું માટે માત્ર સીબીપીના અધિકારીઓ જ નહીં મને અન્ના સાથે વાત ન કરવા દો, પણ તેઓ મને કહેતા પણ નહીં જો તેણી ત્યાં હોત, હું સુપરવાઇઝરથી સુપરવાઇઝર ગયો, પુરાવા રજૂ કરવા વિનંતી અન્નાના પુત્રની વિશેષ જરૂરિયાતો, પરંતુ કોઈ એક પણ કરશે કેસ વિશે મારી સાથે વાત કરો. તે જોવા માટે અતિવાસ્તવ લાગ્યું દુકાનદારો દ્વારા જીવન-મરણની પરિસ્થિતિ જેવું લાગ્યું. કેટલાક કલાકો પછી સીબીપી દ્વારા પથ્થરમારો કરવામાં આવી અ મેં છોડ્યું. કેટલાક દિવસો પછી, મને અન્નાનો પુત્ર મળ્યો પાલક-સંભાળ પ્રણાલીમાં. પરંતુ મને ખબર નહોતી કે અન્નાનું શું થયું એક અઠવાડિયા પછી સુધી, જ્યારે તેણે આપ અપ થઈ અટકાયત શિબિરમાં થોડા માઇલ પૂર્વમાં. હવે, અન્ના પાસે ગુનાહિત રેકોર્ડ નથી અને તેણીએ કાયદાનું પાલન કર્યું. આશ્રય માટે પૂછતી વખતે હજી દેશાગમન અધિકારીઓ તેને વધુ ત્રણ મહિના સુધી રાખ્યો, અમે તેના પ્રકાશન જીતી શકે ત્યાં સુધી તેના પુત્ર સાથે ફરી જોડાવામાં મદદ કરે છે. અન્નાની વાર્તા નથી. ફક્ત એક જ વાર્તા હું તમને કહી શકું છું. ત્યાં મારો અઢાર મહિનાનો છોકરો છે, જેને તેના પિતાને હાથમાંથી ફાખી ફાડી નાખવામાં અને સરકારી આશ્રયમાં મોકલ્યો છે હજારો માઇલ દૂર, જ્યાં તેઓ નિષ્ફળ ગયા મહિનાઓ સુધી તેને યોગ્ય રીતે નહાવા અમાદાઉ છે, અસ્પષ્ટ અસ્પષ્ટ આફ્રિકન બાળક, જે મદદ કરવા માટે. યુએસ સરકાર નિર્દેશ કરશે. નીચા આશ્રય મંજૂરી દર માટે દલીલ કરવા માટે કે આ લોકો ખરેખર શરણાર્થી નથી, જ્યારે હકીકતમાં, યુ. એસ. આશ્રય કાયદો એક અવરોધ માર્ગ છે .તેમને નિષ્ફળ બનાવવા માટે રચાયેલ છે. હવે દરેક સ્થળાંતર નથી સરહદ પર એક શરણાર્થી છે. હું પુષ્કળ આર્થિક સ્થળાંતર કરું છું. ઉદાહરણ તરીકે, જે લોકો જવા માંગતા હોય છે યુનાઇટેડ સ્ટેટ્સમાં કામ કરવા માટે, માતાપિતા માટે તબીબી બીલ ચૂકવવા અથવા ઘરે પાછા બાળક માટે શાળા ફી. વધુને વધુ, હું પણ મળી રહ્યો છું આબોહવા શરણાર્થીઓ. ખાસ કરીને, હું મળી રહ્યો છું ઘણા સ્થાનિક સેન્ટ્રલ અમેરિકનો કોણ લાંબા સમય સુધી કરી શકે છે, પોતાને ખેતી દ્વારા ટકાવી રાખવા. આ પ્રદેશમાં વિનાશક દુષ્કળને કારણે આપણે જાણીએ છીએ કે આજે લોકો સ્થળાંતર કરી રહ્યા છે. હવામાન પરિવર્તનને લીધે, અને તે ભવિષ્યમાં આવું કરશે.